શેર કરવામાં આવેલી તમામ તસવીરો સોનમ કપૂરના ઈન્સ્ટાગ્રામ હેન્ડલની છે. વધુ સ્લેબ હોમ્સ પ્રિયંકા ચોપરા હાઉસ, પટૌડી પ્લેસ, આમિર ખાન હાઉસ, શાહરૂખ ખાન હાઉસ, સલમાન ખાન હાઉસ, પરિણીતી ચોપરા. પૂર્વ તરફના ડુપ્લેક્સ હાઉસ માટે શ્રેષ્ઠ વાસ્તુ ટ્રિપ્સ. વાસ્તુશાસ્ત્ર એક પ્રાચીન વિજ્ઞાન છે, જે વસવાટ કરો છો જગ્યામાં કોસ્મિક ઊર્જાને સુધારવા પર કેન્દ્રિત છે. તેની ઉત્પત્તિ વેદમાંથી થઈ છે અને વસ્તુના નિયમો ઘરમાલિકો માટે દરેક રીતે ખૂબ ફાયદાકારક છે. પૂર્વ દિશાનું દ્રી ગુણિત ઘર વાસ્તુશાસ્ત્રમાં ખૂબ મહત્વપૂર્ણ છે કારણ કે તે ઉગતા સૂર્ય સાથે સંકળાયેલું છે, જે નવી શરૂઆત, જીવનશક્તિ અને સકારાત્મક ઊર્જાનું પ્રતિનિધિત્વ કરે છે. પૂર્વ તરફના ડુપ્લેક્સ હાઉસની ડિઝાઇન અને લેઆઉટમાં વાસ્તુ સિદ્ધાંતોનો અમલ કરીને, સુખદ સ સંપદનોના પ્રવાહને ઑપ્ટિમાઇઝ કરવું, સંવાદિતાને પ્રોત્સાહિત કરવું અને સફળતા અને સુખાકારી માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરવું શક્ય છે. તમે તમારા ઘરમાં સકારાત્મક ઊર્જાના પ્રવાહને આકર્ષિત કરી શકો છો અને વાસ્તુ નિયમોનું પાલન કરીને સંતોષકારક અને સમૃદ્ધ જીવન માટે તેની સાચી સંભાવનાને અનલૉક કરી શકો છો. પૂર્વ તરફના ડુપ્લેક્સ હાઉસ માટે વાસ્તુ. યોગ્ય વાસ્તુ સિદ્ધાંતો સાથે, પરિવારના સભ્યોને ઘણા લાભો પ્રાપ્ત થઈ શકે છે. જો તમે પૂર્વ તરફના ડુપ્લેક્સ હાઉસમાં રહો છો, તો તમે ઈન્ટિરિયર્સ માટે વાસ્તુશાસ્ત્ર પર વિચાર કરી શકો છો. તમારા પૂર્વ તરફના ડુપ્લેક્સમાં સકારાત્મકતા લાવવા માટે અહીં કેટલીક ટીપ્સ આપી છે. મુખ્ય દરવાજો ક્યાં હોવો જોઈએ? તમારા ઘરનો મુખ્ય દરવાજો પૂર્વ અથવા ઉત્તર-પૂર્વ દિશામાં મધ્યમાં હોવો જોઈએ કારણ કે તે બધા પરિવારના સભ્યો માટે ભાગ્યશાળી માનવામાં આવે છે. મુખ્ય દ્વારને હળવા રંગોથી રંગવું જોઈએ. તમારા ઘરની સીડી ઘરમાં દાદર રાખવા માટે કઈ દિશા યોગ્ય છે? ઘર માટે વાસ્તુ અનુસાર, દાદર મુખ્ય દરવાજાની સામે હોવો જોઈએ અને ઉત્તર-પૂર્વ દિશાને ખાસ ટાળવી જોઈએ. દાદરમાં સારી ગુણવત્તાની રેલિંગ હોવી જોઈએ. ઘરની સીમમાં મોટા વૃક્ષો. જો તમે તમારા ઘરમાં મોટા વૃક્ષો વાવવા માંગો છો, તો તમારે પશ્ચિમ અથવા દક્ષિણ દિશા પસંદ કરવી જોઈએ. તૂટેલા અથવા ક્ષતિગ્રસ્ત વૃક્ષોને તાત્કાલિક ઘરમાંથી દૂર કરવા જોઈએ. હકારાત્મકતા માટે તમારા વૃક્ષોની સંભાળ રાખો. ઘર માટે વાસ્તુ ટ્રિપ્સ. સારા કૌટુંબિક સંબંધો માટે પરિવાર માટે વાસ્તુ, ઘર માટે વાસ્તુ, નવા ઘર માટે મહત્વપૂર્ણ વાસ્તુ ટિપ્સ, કાર્યસ્થળ માટે વાસ્તુ ટ્રિપ્સ, કારકિર્દી વૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે, તમારા પૈસાને સમજદારીપૂર્વક મેનેજ કરવા માટે વાસ્તુ ટ્રિપ્સ,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 વસ્તુઓ તમારે જાણવી જોઈએ. પૂજા રૂમ ગોઠવી રહ્યા છીએ. પૂજા ખંડ સાથે પૂર્વ દિશા તરફ ડુપ્લેક્સ ઘરની વાસ્તુ યોજના અનુસાર, પૂજા સ્થળને હળવા રંગોથી રંગવું જોઈએ. તેને